તમે દરરોજ આવા અદ્રશ્ય પ્રાણીઓની નજીક ચાલો છો. અન્ય લોકો પરિચિત દેખાશે, પરંતુ નેમાટોડ્સની જેમ, હજી પણ અજાણ્યા બનો. સાપ કે અળસિયું નથી, નેમાટોડ્સ એ પોતાનું એક પ્રાણી છે. તેઓ અળસિયાની જેમ નવજીવન કરી શકતા નથી અથવા સાપની જેમ ક્રોલ કરી શકતા નથી. પરંતુ તેમના મોંમાં નાના, કટાર જેવી સોય છે જેમાંથી કેટલાક તેનો ઉપયોગ તેમના શિકાર ને શોધવા અને અંદરથી ચૂસવા કરે છે. આપણે લોકપ્રિય માધ્યમોમાં જે જોઈએ છે તે ઘણી વખત સુક્ષ્મસજીવોની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છબીઓ સ્કેન કરેલી હોય છે ડરામણી રાક્ષસો ની જેમ. તેમને જોયા વિના તેમનું જીવન આપણા માટે પ્રપંચી રહે છે તેઓ બધે જ રહેતા હોવા છતાં આપણે બહાર નીકળીએ છીએ. તેમનું દૈનિક જીવન કેવું છે? તેઓ તેમના વાતાવરણ સાથે કેવી રીતે સંપર્ક કરે છે? જો તમે ક્યારેય પ્રાણી સંગ્રહાલયમાં પેન્ગ્વીનનો ફોટો જોયો હોય, પરંતુ તમે આજુબાજુમાં ક્યારેય ફરતા જોયા નથી અને પછી બરફ પર ગ્લાઇડ કરતા, તમે પેન્ગ્વિનને સંપૂર્ણપણે સમજી શક્યા નથી. સૂક્ષ્મ જીવોને ગતિમાં જોઈને, અન્યથા અદૃશ્ય જીવનમાં આપણે વધુ સારી અંતદૃષ્ટિ પ્રાપ્ત કરીએ છીએ. એન્ટાર્કટિકા અને આપણા પોતાના બેકયાર્ડ્સમાં અદ્રશ્ય જીવનનું દસ્તાવેજીકરણ કર્યા વિના, આપણે સમજી શકતા નથી કે આપણે આપણા કેટલા પ્રાણીઓ વિશ્વ સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ કે આપણી પાસે હજી સંપૂર્ણ ચિત્ર નથી અમારા વિચિત્ર અને તરંગી ઘર ગ્રહ નું. આભાર. સૈદા આદેને કહ્યું: મારા મગજમાં હજી આ ભયાનક છબી છે. હું લોકોને નીચે પડતા જોઈ શકુ છું, ગોળીબાર. હું ખૂબ ગભરાઈ ગઈ. ખરેખર, હું ખૂબ રડતી હતી. કોઈ મારા। પિતા અને મમ્મીને જાણતો હતો તેણે મારો હાથ પકડ્યો, અને કહ્યું, "ચાલો! ચાલો! ચાલો! ચાલો! " અને હું, "મારી મમ્મી ક્યાં છે? મારી મમ્મી? મારી મમ્મી? " નોરીઆ ડેમ્બ્રીન ડુસાબીરેમે: રાત દરમિયાન આપણે અવાજ સાંભળીશું, આપણે બંદૂકો સાંભળીશું. ચૂંટણી થવાની હતી. અમારી શેરીમાં યુવાનો હતા, તેઓ હડતાલ કરી રહ્યા હતા. અને મોટાભાગના યુવાનો મૃત્યુ પામ્યા હતા. એસ. એ. એસ.: અમે વાહન પર સવાર થઇ ગયા. તે ભરચક થઈ ગયું હતું. લોકો તેમના જીવન માટે દોડતા હતા. આ રીતે હું સોમાલિયાથી ભાગી ગઈ. મારી મમ્મી મને ચૂકી ગઈ. હું ક્યાં ગઈ છું તેવું કોઈએ તેને ન કહ્યું. એનડીડી: હકીકત એ છે કે અમે શાળાએ ગયા ન હતા, અમે બજારમાં જઈ શક્યા નહીં, અમે ફક્ત ઘરે અટવાઈ ગયા હતા મને સમજાયું કે જો મને કંઈક સારું કરવા જવાનો વિકલ્પ મળે, હું હમણાં જ તેના માટે જઈ અને સારું ભવિષ્ય બનાવી શકું છું. ઇગ્નાઝિઓ મેટ્ટેની: વૈશ્વિક